તેથી મારી ટીમ અને મેં એક મોટી લેબ રિગ બનાવી, જેથી અમે અમારી આર્કિટેક્ચરને સંપૂર્ણ બનાવી શકીએ, વિવિધ પરિસ્થિતિઓનું પરીક્ષણ કરી શકીએ અને લાખો ડોલર ખર્ચીને દરેક ચિપ બનાવતાં પહેલાં અમારી ચિપ ડિઝાઇનને યોગ્ય રીતે સુધારી શકીએ. અમે અમારી નવી ચિપ-આધારિત શોધ સિસ્ટમને વધુ નાની, ઝડપી અને ઝડપી સ્કેનિંગ માટે સક્ષમ બનાવી રહ્યા છીએ, જેથી આપણા શરીરમાં પ્રકાશ કેવી રીતે વિખેરાય છે તે જોઈ શકાય. વધુ સારી, ઝડપી અને સસ્તી આરોગ્યસંભાળ શક્ય બનાવવાની આ ત્રીજી ચાવી છે. આ એક એવી વસ્તુનું મોડેલ છે જે એક મિલિયન ડોલરની એમ આર આઈ મશીનની ક્ષમતાને કન્ઝ્યુમ ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં લાવી શકે છે. તમે તેને પટ્ટાની જેમ પહેરી શકો, સ્કી ટોપીની અંદર લગાવી શકો અથવા ઓશીકાની અંદર મૂકી શકો. અને આ જ અમે બનાવી રહ્યા છીએ. આભાર! હવે તમે કદાચ વિચારી રહ્યા હશો, “મને સમજાયું કે આપણે આપણા શરીરમાંથી પ્રકાશ પસાર કરી શકીએ છીએ. મને એ પણ સમજાયું કે હોલોગ્રાફીનો ઉપયોગ કરીને આપણે છૂટાછવાયા પ્રકાશને નિયંત્રિત કરી શકીએ છીએ. પરંતુ આ નવી ચિપનો ઉપયોગ સ્કેનિંગ માટે કેવી રીતે કરીશું? અમારી પાસે તેનો એક અનોખો અભિગમ છે ના, ખરેખર, અમે અવાજનો ઉપયોગ કરીએ છીએ. અહીં આ ત્રણ ડિસ્કસ અને ડિઝાઇન કરેલા ઇન્ટ્રોગ્રેટેડ સર્કિટસનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ અમારી વર્તમાન સિસ્ટમની તુલનામાં દરેકને મોટા પ્રમાણમાં ઘટાડે છે. ચિપમાંથી એક પર એક સોનિક પિંગ મોકલવામાં આવે છે અને તે તેને નીચેની તરફ કેન્દ્રિત કરે છે. ત્યારબાદ અમે લાલ પ્રકાશ ચાલુ કરીએ છીએ. જ્યારે લાલ પ્રકાશ આ સોનિક ફોક્ટિસમાંથી પસાર થાય છે, ત્યારે તેનો રંગ થોડો બદલાય છે, બિલકુલ પોલીસ કારના સાયરનસ ની પિચ બદલાય તેમ. જેમ સાયરનસ સન તમારી પાસેથી ઝડપથી પસાર થાય છે, તેમ અવાજમાં ફેરફાર થાય છે. હોલોગ્રાફી વિશે બીજી એક મહત્વપૂર્ણ વાત છે કે જે મેં તમને હજી સુધી કહી નથી. હોલોગ્રાફી બનાવવા માટે સમાન રંગના બે પ્રકાશ કિરણોની જરૂર પડે છે. અહીં સૈનિક ફોકસમાંથી બહાર આવતો નારંગી પ્રકાશ છે. તેનો રંગ થોડો બદલાયેલો છે. અને આ નારંગી પ્રકાશને નજીકની ચિફ પર મોકલીએ છીએ અને ત્યારબાદ કેમેરા ચિપ તેનો હોલોગ્રામ રેકોર્ડ કરે છે. આ હોલોગ્રામમાંથી આપણે સૈનીક ફોકસ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ, લાલ પ્રકાશને ફિલ્ટર કર્યા પછી, આપણે પ્રકાશને નીચેની તરફ ફરીથી કેન્દ્ર કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, કોઈ ન્યુરોન અથવા મગજના ચોક્કસ ભાગને ઉત્તેજિત કરવા માટે પછી આપણા સૈનિક ફોકસને બીજા સ્થાન પર ખસેડીએ છીએ. આ પ્રક્રિયાને વારંવાર કરીને આપણે મગજને એક સ્થાન પછી બીજા સ્થાને સ્કેન કરી શકીએ છીએ. આ રીતે અમારી ચિપ્સ હોલોગ્રામને ડિકોડ કરે છે અને સૈનિક ફોકસની સ્થિતિ ની વિશેશતા માહિતી મેળવી શકે છે.